આ ગ્રુપમાં એક પાર્ટીના નેતા છે જે સમજે છે કે કાશ્મીરને ભારત સાથે જોડવું ભૂલ છે. વિપક્ષને પોતાને જ પોતાના અવિશ્વાસ પ્રસ્તાવ પર વિશ્વાસ નથી. આ લોકો સત્તાની લાલચમાં એકબીજાના વિરોધી બનીને એકસાથે આવી રહ્યા છે. તેઓ બંધારણને બચાવવાની વાત કરે છે, તેઓ પોતાનો ઇમાનને બચાવવાનો ઉત્તર લોકોને આપે. આ ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ છે, જેમનામાં દિલ નથી મળતા તે દળ મળી ચુક્યા છે. મણિપુરને લોન્ચપેડ બનાવવા માંગે છે કોંગ્રેસ તેમણે કહ્યું કે તેઓ મણિપુરની ઘટનાનો ઉપયોગ કરીને પોતાનું લોન્ચપેડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ એક વર્ષમાં આ કામ કર્યું હતું. કોંગ્રેસના તુષ્ટિકરણની રાજનીતિના કારણે પૂર્વોત્તરની સમસ્યા શરૂ થઈ હતી. રાહુલ ગાંધીનું નામ લઇને સીધો પ્રહાર પોતાના ભાષણ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મણિપુરને ભારતનો ભાગ માનતા નથી. હું બતાવવા માંગીશ કે પ્રધાનમંત્રીએ ઉત્તર-પૂર્વને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું છે. ભારતને અલગ-અલગ ટુકડાઓમાં જોવાની વિચારધારા તમારી છે, અમારી નહીં. તે કહે છે કે નફરતની દુકાનમાં મોહબત્તની દુકાન લાવીશું. તેમની દુકાન ભ્રષ્ટાચાર, જુઠ, તૃષ્ટીકરણ, અહંકારની દુકાન છે.